અહીં અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારી કારને સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકો છો. તડકામાં પાર્કિંગ કરતી વખતે કાળજી લોવ્યક્તિએ હંમેશા છાયામાં કાર પાર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ જ્યારે એકદમ જરૂરી હોય, ત્યારે બારીઓ થોડી નીચી રાખો, જે ક્રોસ-વેન્ટિલેશનમાં મદદ કરે છે અને કેબિનમાંથી ગરમ હવાને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય જ્યારે કાર તડકામાં હોય ત્યારે તમે બારીઓ પર સન શેડનો પણ ઉપયોગ કરી શકો છો. એસીકારના માલિકોની ઉનાળાની સામાન્ય ફરિયાદ એ છે કે તેમની કારનું એર કંડિશનર કેબિનને ઠંડુ કરવામાં ઘણો સમય લે છે. તમારું યુનિટ ગમે તેટલું શક્તિશાળી હોય, કારમાં ફસાયેલી બધી ગરમીને કારણે સમય લાગે છે, ખાસ કરીને જ્યારે સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરવામાં આવે છે. આને અવગણવા માટે, એકવાર તમે કારમાં પ્રવેશ કરો, પ્રથમ બારીઓ નીચે ફેરવો અને ગરમીમાંથી થોડી બચવા દો. ટાયરનું દબાણ જાળવી રાખોતમારે સમય સમય પર તમારી કારના ટાયરનું દબાણ તપાસવું જોઈએ. કારણ કે ઉનાળા દરમિયાન જો ટાયરમાં પ્રેશર વધારે હોય તો ટાયર ફાટવાની શક્યતા વધુ રહે છે. સાથે જ ઉનાળામાં ટાયરનું દબાણ ઓછું રાખવું જોઈએ. કાર ચાલતી હોય ત્યારે ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ થાય છે. આ ગરમી ઉત્પન્ન કરે છે. જો તમારું ટાયરનું પ્રેશર ખૂબ વધારે હોય તો તે ટાયર ફાટવાનું કારણ બની શકે છે. સામગ્રી તપાસતા રહોકૂલન્ટ કારને ઠંડી રાખવાનું કામ કરે છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઉનાળાની કારમાં શીતકની માત્રા સંપૂર્ણ હોવી જોઈએ. ઘણીવાર લોકો શીતકને બદલે રેડિએટરમાં પાણીનો ઉપયોગ કરે છે, જે થોડા સમય માટે સારું છે, પરંતુ જો લાંબા સમય સુધી જવું પડે તો તે નુકસાનકારક બની શકે છે. રેડિયેટર ફેન તપાસતા રહોકારના રેડિએટર સાથે લગાવેલા પંખાને પણ તપાસો. કારણ કે ઘણી વખત પંખો ન ચાલવાની સ્થિતિમાં કાર વધુ ગરમ થઈને બંધ થઈ જાય છે. તેથી જો તમે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી કાર તમારી સાથે સારી રીતે રમશે. જો તમે તમારી કારમાં આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો તો ઉનાળામાં તમારી કાર છેતરશે નહીં. જો તમે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ વસ્તુઓને કારમાં રાખવાનું ભૂલશો નહીં, ઈમરજન્સીમાં તે ખૂબ જ ઉપયોગી થશે. પર નહીં કરી શકાય કોલ રેકોર્ડિંગ, ઇલેવન મેથી બંધ થશે આ સુવિધા પર બ્લુ ટિક કેવી રીતે દૂર કરવી?